પરંતુ એમણે તો મીઠાઈ વહેંચવાનું ચાલુ જ રાખ્યું. તરત જ એમને બીજી વાર આ સમાચાર આપવામાં આવ્યા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ એમના કુટુંબીઓએ એમને પૂછ્યું કે પહેલો સંદેશો મળ્યો કે તરત જ તેઓ શા માટે ન આવ્યા? એમણે કહ્યું, "બાળકો ઘણા જ ખુશ હતા એટલે હું એમને અધવચ્ચે જ કાર્યક્રમ અટકાવીને દુઃખી કરવા નહોતો માંગતો. " હોમી જહાંગીર ભાભા જગ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભા ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ ગણાય છે. એમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી. એમના માર્ગદર્શન હેઠળ અનેક વૈજ્ઞાનિકો તૈયાર થયા. હોમી ભાભા અને યુવાનો હોમી ભાભાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, મુંબઈમાં દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની નિમણુંક કરી હતી. પી. સી. વૈદ્ય સેવાદળમાં રહી ચૂકેલા એટલે એમને ધ્વજ કેવી રીતે લહેરાવવો એની સમજ હતી. એમણે એની ગોઠવણ કરી આપી અને હોમી ભાભા આવ્યા ત્યારે એમને ધ્વજ લહેરાવવા દોરી આપી જે ખેંચીને ધ્વજ લહેરાવી શકાય. હોમી ભાભા અકળાયા અને એમણે પી. સી. વૈદ્યને કહ્યું કે, "આજે આઝાદીનો પહેલો દિવસ છે. આજથી દેશનો નવો રાષ્ટ્રધ્વજ અમલમાં આવે છે. માટે આજે ધ્વજ લહેરાવવાનો નથી પરંતુ ચઢાવવાનો છે. " તેઓ યુવાનોને આવી તમામ બાબતો પ્રત્યે ઝીણવટથી ધ્યાન આપવાનું શીખવતા. હોમી ભાભા એમની પાસે કામ કરતા તમામ યુવાન વૈજ્ઞાનિકોની અંગત સમસ્યાઓ ધ્યાનથી સાંભળતા અને એમને યોગ્ય સલાહ પણ આપતા. એક વખત વડોદરાની મ. સ. યુનિવર્સીટીના કલાભવનના કેટલાક વિદ્યાર્થીઓએ એમની કલાકૃતિઓનું એક પ્રદર્શન મુંબઈની તાજ હોટેલમાં યોજ્યું હતું. એમાં ત્રણ દિવસમાં કેટલાક વિદ્યાર્થીઓના ચિત્રો વેંચાઈ ગયા પરંતુ મહેન્દ્ર પંડયા નામના વિદ્યાર્થીના ચિત્રો હજી નહોતા વેંચાયા. છેલ્લા ત્રીજા દિવસે એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવ આવ્યા અને એમણે ચિત્રોને ખુબ જ રસપૂર્વક નિહાળ્યા. એમણે આ ચિત્રોના ચિત્રકાર મહેન્દ્રને કહ્યું કે એણે બહુ જ સરસ ચિત્રો દોર્યા છે. એમણે જાણ્યું કે આ વિદ્યાર્થી ગુજરાતી છે ત્યારે તેઓ ખુબ જ ખુશ થઇ ગયા અને એની સાથે ગુજરાતીમાં વાત કરી. વિદ્યાર્થી મહેન્દ્રને જયારે ખબર પડી કે આ મહાનુભાવ તો દેશના ખ્યાતનામ ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા છે ત્યારે તેઓ તો માની જ ન શક્યા. ભાભાએ પૂછપરછ કરતાં જાણ્યું કે મહેન્દ્રના ચિત્રો હજી વેંચાયા નથી. એમણે તરત જ એમના ચિત્રો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ માટે ખરીદી લીધા. એપીજે અબ્દુલ કલામ આધુનિક ભારતના સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા. તેઓ હજારો બાળકો અને યુવાનોના હૈયાને સ્પર્શી શક્યા હતા. મેં એમના બાળકો અને યુવાનો સાથેના પ્રસંગો અહીં વર્ણવવાનું શરુ કર્યું ત્યારે મને આવા એટલા બધા પ્રસંગો મળ્યા કે જે બધા જ અહીં આપી શકાય એમ નથી. એના માટે તો એક અલાયદું પુસ્તક લખવું પડે! આથી હું થોડાક રસપ્રદ પ્રસંગો જ અહીં આપું છું. ડૉ. એપીજે અબ્દુલ કલામનું બાળપણ અબ્દુલ કલામ તામિલનાડુના એક ગરીબ માછીમાર કુટુંબમાં જનમ્યા હતા. એમનું બાળપણ જ્યોતિર્લિંગ માટે પ્રખ્યાત રામેશ્વરમમાં વીત્યું હતું. કલામ ઘણા હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ રામેશ્વરમની પ્રાથમિક શાળામાં ભણતા હતા.